તથા વિકાસલક્ષી પ્રોજેક્ટ અંગે પણ સમિક્ષા કરશે આ ઉપરાંત અખાત સહકાર પરિષદના નેતાઓ સાથે પણ ચર્ચાવિચારણા કરી હતી આજે વહેલી સવારે આયલેન્ડને છ વિદેશમંત્રીશ્રી ઇન્ડોનેશિયા અંતરિયાળ વિસ્તાર માલુકુ આઇલેન્ડમાં આજે ધરતીકંપ આવતા ચાર વ્યક્તિઓના મરણ થયા છે મુખ્ય ન્યાયાધીશશ્રી રંઘ ન ગોગોઇના અધ્યક્ષપદે પાંચ ન્યાયાધીશોની એક ધારણીય સમક્ષ એડવોકેટ રાજીવ ધવને કહ્યું કે તેઓ પુરાતત્વ વિભાગના અહેવાલ સામે પ્રશ્ન ઉઠાવતા નથી તેમણે કહ્યું કે ઓક્ટોબરમાં રજાઓ પણ છે ત્યારે હિન્દુ તરફી ચાર પક્ષોના એક એડવોકેટને રજૂઆતનો સમય અપાશે દેગલકરનું પૂણ્યભૂષણ પુરસ્કારથી સન્માન કરતાં તેમણે જણાવ્યું કે વારસારૂપ કલાત્મક સ્થાપત્યોની જાળવણી માત્ર સરકારની નહીં નાગરિકોની પણ ફર છે અન્ય નિયમોને શરતોમાં કોઇ ફેરફાર રહેશે નહિં ભારતીય રિઝર્વ બેન્કે પીએમસી બેન્કમાંથી ઉપાડ અંગેના હુકમો સુધાર્યા છે બાણું પોલીસમથક વિસ્તારોમાંથી ઉઠાવી લેવાયા છે પ્રધાનમંત્રી મોદી આજે રાત્રે ન્યૂયોર્કમાં ઇરાનના પ્રેસિડન્ટ હસન રૂહાની સાથે વાટાઘાટો કરશે મહિલા ક્રિકેટમાં ભારત દક્ષિણ આફ્રિકા સામે બીજી ટીટ્વેન્ટી મેચ આજે સાંજે સુરત ખાતે રમાશે તે માટે વાતાવરણના પરિવર્તન માનવજાત સામેનો મોટો પડકાર ગણાવ્યો હતો સર્વોચ્ચ અદાલતે અયોધ્યા જમીન વિવાદ કેસમાં દરેક પક્ષકારોને તેમની રજૂઆતો અઢાર ઓકટોબર સુધીમાં પૂર્ણ કરી દેવાના નિર્દેશ કર્યા છે અને વાહનવ્યવહાર રાબેતા મુજબ ચાલી રહ્યો છે ઓપરેટીવ માર્કેટીંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાએ ગઇકાલે ડુંગળી ભરેલી દસ ટ્રકો હરિયાણા મોકલી હતી મહારાષ્ટ્રમાં મુંબઈની પંજાએન્ડ મહારાષ્ટ્ર કો આ ઉપરાંત અકાલીદળના ધારાસભ્ય લકૌરસિંહ પણ ભાજપમાં ઘોડાયા છે સર્વોચ્ચ અદાલતે અયોધ્યા એક મીન વિવાદકેસમાં સમયમર્યાદામાં સુનાવણી પૂરી કરવા તમામ પક્ષોને જણાવ્યું છે અને અઢાર ઓક્ટોબર બાદ વધુ સમય નહીં અપાય તેનો પુનરૂચ્ચાર કર્યો છે પત્રકારો સાથેની વાતચીતમાં વિદેશમંત્રાલયના પ્રવકતા રવિશકુમારે જણાવ્યું કે ન્યૂઝીલેન્ડના પ્રધાનમંત્રી જેસીન્ડા આર્ડન સાથેની બેઠકમાં શ્રી મોદીએ ક્રાઇસ્ટ ચર્ચ હુમલાની ટીકા કરી અને સાંત્વના સંદેશ પાઠવ્યો હતો સુધારેલા નિર્દેશો મુજબ થાપણદારો તેમના ખાતા કરંટ એકાઉન્ટ અથવા અન્ય કોઇપણ ડીપોઝીટ એકાઉન્ટમાંથી દસ હજાર રૂપિયા કરતાં વધે નહિં તેટલી રકમ ઉપાડી શકશે ચૂંટણીપંચે ઉત્તરપ્રદેશ અને બિહારની રાજ્યસભાની એક એક બેઠકની પેટાચૂંટણી જાહેર કરી છે અદાલતે મુસ્લીમ તરફી રજૂઆતમાં ભારતીય પુરાતત્વ વિભાગના અહેવાલ અંગેની રજૂઆત પુરી કરવા કહ્યું હતું તેમણે દેશની સૌથી વધુ વસતિ યુવાનોની છે તેનો ઉલ્લેખ કરી રાષ્ટ્રપતિએ કહ્યું કે તે સૌને મહાત્મા ગાંધીજીની વિચારધારા સાથે ઘોડવાની આવશ્યકતા છે ભારતીય હોકી ટીમના ભૂતપૂર્વ કેપ્ટન સંદિપસિંહ અને ઓલિમ્પિક કુસ્તીયોગેશ્વર દત્ત ભારતીય જનતા પાર્ટીમાં ઘોડાયા છે આ છુટ આપવાને કારણે બેન્કના સાઈઠ ટકા થાપણદારો તેમના ખાતામાંથી નાણાં ઉપાડી શકશે રીઝર્વ બેન્કે તેવીસ સપ્ટેમ્બરના રોજ નિયત કરેલી સુચનાઓને આધિન રહી આ ઉપાડ કરી શકાશે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીએ વિશ્વની ટોચની ઉદ્યોગ સંસ્થાઓના નેતાઓને ભારતમાં મૂડીરોકાણ માટે આમંત્રણ આપ્યું છે અને દેશની વિકાસગાથાનો ભાગ નવા અનુરોધ કર્યો છે ન્યૂયોર્કમાં પત્રકારોને માહીતી આપતાં ઉદ્યોગ પ્રોત્સાહન અને વેપાર વિભાગના સચિવ ગુરૂપ્રસાદ મહાપાત્રએ જણાવ્યું કે માહીતી ટેકનોલોજી અન્ય પ્રક્રિયા ઉર્જા સંરક્ષણ વિમાન ઉદ્યોગના અગ્રણીઓ તેમાં હાજર રહ્યા હતા।